ડમીકાંડમાં આપ નેતા રમણિક જાની નામના શખ્સ સામે ફરિયાદ થઈ છે. સિંહોરના રબારિકા ગામે રહેતા અને પાર્ટીમાં સંગઠન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા રમણિક જાનીપછી ભૂગર્ભમાં જતા રહ્યા છે. ડમી કાંડને લઈને ગુજરાત આપના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હાલમાંઘણા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. તે ગમે તેમ કરીને યુવરાજને ફસાવશે, તે રાજકીય દાવપેચનો રાજકીય જવાબ આપીશ. સમય આવ્યે આપીશ. હાલબધું યોગ્ય નથી. હું કોઈને પણ કોઈ સંજોગોમાં નહીં છોડું. તમે ખોટું કર્યું છે, તમારે ભોગવવુંપડશે. મેં વિદ્યાર્થી આગેવાન તરીકેપ્રેસ કોન્ફરન્સ કરી છે. મારા પરિવારને ધમકાવાય છે. કહે છે તારી પત્ની જે રસ્તે જાય છે તે અમે જાણીએ છીએ. આવી ધમકીઓ અપાય છે. મને કરોડ સુધીની ઓફરો આપી છે. પણ હું નહીં છોડું. લડી લેવા તૈયારછીએ. હુંબિપિન ત્રિવેદીને જાણું છું. તે વ્યક્તિની બુકને લઈને અગાઉ મળવાનું થયું હતું પણ હવે તે તેમના સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્ર છે. ડમી વિદ્યાર્થીઓ, ડમી પ્રમાણપત્રો, ડમી માર્કશીટની ત્રણ બાબતોની મેં વાત કરી હતી. મેં જેટલાની પૃષ્ટી કરી તેના નામ મેં હસમુખ પટેલને સોંપી પણ હતી. બિપિન ત્રિવેદી સામાજીક એજન્ટ બનીને આવ્યા હતા. તે આર્થિક વ્યવહારની લેતીદીતી થઈ નથી. લેતી દીતીની વાત આવી હતી. એજન્ટો સાથે મુલાકાતનું એટલુંકારણ હતું કે મારે તેમની પાસેથી માહિતીઓ કઢાવવાની હતી.